બુદ્ધ નિર્ભયતાથી ચાલ્યા. અંગુલિમાલા તેટલી ઝડપથી દોડી ગયો પણ તે તેની સાથે પકડી શકી નહીં. તેણે બુદ્ધને શપથ લેવડાવ્યા અને બુમો પાડ્યા, પરંતુ બુદ્ધે તેમના પર કૃપાથી સ્મિત કર્યું અને જંગલમાં ચાલવાનું ચાલુ રાખ્યું. આ ઘણા કલાકો સુધી ચાલ્યું અને અંગુલીમાલા છેલ્લે કંટાળીને બેઠી હતી. બુદ્ધ તેની સામે. ભા રહ્યા. તેનો ચહેરો લૂંટારુ પ્રત્યેની દયાથી ચમકતો હતો. 'તું કોણ છે યાર? ' અંગુલિમાલાને પૂછ્યું. 'તમે આ જંગલમાંથી એકલા કેમ મુસાફરી કરો છો? શું તમે અંગુલિમાલાથી ડરતા નથી? હું તમને કેમ પકડી શક્યો નહીં? તમે શું જાદુ ધરાવે છે? બુદ્ધે હળવેથી જવાબ આપ્યો, 'હું તમારો મિત્ર છું અને હું તમારી મદદ માટે જંગલમાં આવ્યો છું. હું તમને આગળના પાપથી બચાવવા આવ્યો છું. હું તમારાથી ડરતો નથી કારણ કે હું બીજા બધા માણસોને પ્રેમ કરું છું તેમ હું પણ તમને પ્રેમ કરું છું. મારું જાદુ એ તમામ જીવંત પ્રાણીઓ માટે દયાની જાદુ છે. ' આ ઉમદા શબ્દો અંગુલિમાલાના ક્રૂર હૃદયને સ્પર્શ્યા અને તે બુદ્ધના ચરણોમાં પડ્યા. " હે ભગવાન મને બચાવો! ' તેણે રડતાં કહ્યું. 'હું બુદ્ધ છું પૃથ્વી પરનો સૌથી મોટો પાપી'. તે કડકાઈથી રડ્યો અને બે નકામી પ્રવાહોમાં તેની આંખોમાંથી આંસુઓ વહી ગયા. 'તે મોટે ભાગે મેન્યુઅલ મજૂર હતું, પરંતુ તમારે એ સમજવું જોઇએ કે મોટાભાગના કેદીઓ શ્રમજીવી વર્ગના હતા, અને આ પ્રકારનું કામ તેમના માટે કોઈ મુશ્કેલી ન હતું. -ફિસમાં કામ કરવા અને આવી વસ્તુઓમાં મધ્યમ વર્ગના કેદીઓને સરળ નોકરી આપવામાં આવી હતી. જો તે માણસ ખેડૂત હતો, તો તેને જમીનનો એક ટુકડો, બળદની જોડી અને મકાન આપવામાં આવ્યું. આવી વાર્તાઓ આપણને વિચારસરણીમાં મૂકી દે છે, આશ્ચર્ય થાય છે કે સમાન સંજોગોમાં આપણે શું કરવું જોઈએ. જીવલેણ માણસોના તે છેલ્લા કલાકોમાં આપણે કઈ ઘટનાઓ, કયા અનુભવો, કયા સંગઠનોમાં ભીડ કરવી જોઈએ? ભૂતકાળની સમીક્ષા કરવામાં આપણે કયું સુખ મેળવવું જોઈએ, જેનો દિલગીરી છે? કેટલીકવાર મેં વિચાર્યું છે કે દરરોજ જીવવું એ એક ઉત્તમ નિયમ હશે જેમ કે આપણે કાલે મરી જઈએ. આવું વલણ જીવનના મૂલ્યો પર તીવ્ર ભાર મૂકે છે. આપણે દરરોજ નમ્રતા, ઉત્સાહથી અને પ્રશંસાની આતુરતા સાથે જીવવું જોઈએ, જ્યારે વધુ દિવસો, મહિનાઓ અને વર્ષો આવનારા સતત પેનોરામામાં સમય આપણી સમક્ષ લંબાવે છે ત્યારે ઘણી વાર ખોવાઈ જાય છે. એવા લોકો પણ છે, જેઓ 'ખાવું, પીવું અને આનંદી થવું' ના મહાકાવ્ય ધ્યેયને અપનાવશે, પરંતુ મોટાભાગના લોકો તોળાઈ રહેલા મૃત્યુની નિશ્ચિતતા દ્વારા શિસ્તબદ્ધ રહેશે. સૂર્યના સમયે રામ અને લક્ષ્મણ વનાર સેના સાથે રથમાં આવે છે. રામ પુતળાઓ ઉપર તીર ચલાવે છે. પુતળાઓ આગ પકડે છે અને બળીને રાખ થઈ જાય છે. ફટાકડા અને ફટાકડા હવામાં ફૂટ્યા હતા. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં લોકો એક બીજાને શુભેચ્છા પાઠવવા જાય છે. દશેરા અનિષ્ટ ઉપર સારાની જીતનું પ્રતીક છે.